તમારા ઘરનો ઉત્તર-પશ્ચિમ ઝોન બાથરૂમ અને શૌચાલય માટે શ્રેષ્ઠ સ્થાન છે. બાથરૂમ અને શૌચાલય બનાવવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા ટાળો, કારણ કે તે તમારા નકારાત્મક અસર કરી શકે છે. જો કે, જો તમે તેને ટાળી શકતા નથી, તો અમે તેની ખરાબ અસરોનો સામનો કરવા માટે વાસ્તુ ઉપાયોનો ઉપયોગ કરવાનું સૂચન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શૌચાલયની દિવાલની બહાર પાસે પિરામિડ મૂકવો અથવા દરવાજો હંમેશા બંધ રાખવો. શૌચાલયનો પ્રવેશ દરવાજો ઉત્તરી અથવા પૂર્વીય દિવાલ સાથે હોવો જોઈએ. ટોયલેટ સીટ માટે ઉત્તર-પશ્ચિમ અથવા દક્ષિણ-પૂર્વ દિશા શ્રેષ્ઠ છે. પ્લેસમેન્ટ એવું હોવું જોઈએ કે ટોયલેટ સીટ પર બેસતી વખતે વ્યક્તિ પશ્ચિમ અથવા પૂર્વ તરફ મુખ કરે. શૌચાલય અથવા બાથરૂમની બારી પશ્ચિમ, પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવી જોઈએ. તમારું બાથરૂમ શાવર અથવા વૉશ બેસિન ઉત્તરપૂર્વ, ઉ ઉત્તર અથવા પૂર્વ હોવું જોઈએ. ખાતરી કરો કે તમારું બાથરૂમ અથવા શૌચાલય રસોડા અથવા પૂજા રૂમ સાથે દિવાલ શેર કરતું નથી. બાથરૂમની પાલેપ પાઇપલાઇનનો આઉ આઉ આઉટલેટ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવો જોઈએ. બાથરૂમમાં અથવા શૌચાલયમાં અરીસો લટકાવતી વખતે, ખાતરી કરો કે તે પૂર્વ અથવા ઉત્તર દિશામાં છે. વૉશ બેસિન માટે પણ આ જ નિયમને અનુસરો. વસ્તુ મુજબ બાથરૂમ અને ટોયલેટ માટે લાઇટ પેસ્ટનો શેડ્સ બેસ્ટ છે. તમે ઓછા વાદળી, ગુલાબી અથવા રાખોડી જેવા રંગ પસંદ કરી શકો છો. તમારા બાથરૂમ અથવા ટોયલેટ માટે હંમેશા લાકડાનો દરવાજો પસંદ કરો. ધાતુની પસંદગી નકાર નકારાત્મક ઊર્જાને આકસીત કરી શકે છે. નવા ઘર માટે વાસ્તુ ટિપ્સરૂમનો આ આ આકાર વાસ્તુશાસ્ત્રમાં ઘરના તમામ રૂમની સ્થિતિ માટે વધારાના નિયમો છે. ખાતરી કરો કે તમારા ઘરની રૂમ સીધી રેખાઓને અનુસરે છે, અને આકારમાં ચોરસ અથવા લંબચોરસ છે. વાસ્તુ મુજબ કોઈપણ ગોળાકાર ફર્નિચર અથવા રૂમનો ઉપયોગ કરવાનું ટાળો કારણ કે તે અયોગ્ય છે. વાસ્તુ પ્રમાણે લંબચોરસ આકારનો ઓરડોઘર માટે વાસ્તુશાસ્ત્રયોગ્ય વેન્ટિલેશન યોગ્ય વેન્ટિલેશન અને પર્યાપ્ત દિવસનો પ્રકાશ આવશ્યક ઘટ ઘટકો છે. ઘર માટે વાસ્તુ અનુસાર, ઘરના તમામ રૂમમાં નિશ્ચિતપૂર્વ સૂર્યપ્રકાશ અને યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએ. આમ કરવાથી ઊર્જાના પ્રવાહમાં મદદ મળશે અને સકારાત્મકતા વધશે. ઘરમાં યોગ્ય વેન્ટિલેશન હોવું જોઈએનવા ઘર માટે વાસ્તુ ટિપ્સવાસ્તુ રંગો ઘર માટેની વાસ્તુરંગો પર નોંધપાત્ર ધ્યાન આપે છે કે જેનાથી આપણે આપણા ઘરને શણગારીએ છીએ. તેથી, તમારે ઘાટા રંગોનો ઉપયોગ કરવાથી દૂર રહેવું જોઈએ. સકારાત્મક વાઇબ્સનો લાભ લેવા માટે સફેદ, પીળો, ગુલાબી, કોરલ, લીલો, નારંગી અથવા વાદળી જેવા શેડ્સ પસંદ કરો. આધુનિક વસવાટ કરો ખંડ આંતરિક વાસ્તુશાસ્ત્ર મુજબ મૂવ-ઇન કરવાનો શુભ સમય અનુસરવા માટેની એક આવશ્યક વાસ્તુ ટીપ્સછે કે તમે જે કરો છો તે બધું પંચાંગ ના નિયમો પર